રાજીવ જૈન, જે ભારતીય મૂળના રોકાણકાર છે અને ફુલ ફ્લો ફ્લોરિડામાં ફોર્ટ લૉડ લૉડરડેલ ખાતે કામગીરી કરે છે, તેમણે જણાવ્યું હતું કે તેઓને શોર્ટ સેલર હિંડનબર્ગના આક્ષેપોની કોઇ ચિંતા નથી. અદાણી ગ્રૂપે હિંડનબર્ગના આક્ષેપોને નકારી કાઢ્યા છે. રાજીવ જૈને આ વર્ષની શરૂઆતમાં બ્લૂમબર્ગ ન્યૂઝને જણાવ્યું હતું કે ત્રીસ વર્ષની રોકાણ કારકિર્દીમાં મને હજુ સુધી એક આદર્શ કંપની મળી નથી. " જૈને અદાણી ગ્રૂપના કારોબારના મૂલ્ય તરફ નિર્દેશ કરીને તેના વિરોધભાસી રોકાણને પણ યોગ્ય ઠેરવ્યું છે, જેમાં તેની કોલસા ખાણકામ અને એરપોર્ટ એસેટનો સમાવેશ થાય છે, જે ભારતના વિકાસના લક્ષ્યો સાથે જોડાયેલી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, જેમની ગૌતમ અદાણી સાથે ગાઢ મિત્રતા હોવાનું કહેવાય છે, તેઓ સ્થાનિક કોર્પોરેટ ગ્રૂપને નિર્ણાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા દબાણ કરી રહ્યા છે અને ઉત્પાદનને ચીન જેવા સ્થળોથી ભારતમાં લાવવા માટે દબાણ કરી રહ્યા છે. ગયા અઠવાડિયે ભારતની સર્વોચ્ચ અદાલતમાં સુપરત કરાયેલ વચગાળાની એક્સપર્ટ્સ પેનલના અહેવાલમાં અદાણી સમૂહ દ્વારા શેરના ભાવમાં હેરાફેરીના કોઈ નિર્ણાયક પુરાવા મળ્યા ન હોવાથી માર્કેટનો ટ્રેન્ડ્સ હાલ જૈનની તરફેણમાં હોવાનું જણાય છે. અદાણી ગ્રૂપના શેરમાં તેજીનો વંટળો, અદાણી પોર્ટ સો ટકા રિકવરી. અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં છેલ્લા કેટલાક દિવસથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારે પણ અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનો શેર ઓગણીસ ટકા જેટલો વધ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં આ શેરમાં છેતાલીસ ટકાનો ઉછાળો આવ્યો છે. તો અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કંપનીનો શેર હિંડનબર્ગના આક્ષેપો બાદ બનેલા નીચા ભાવથી સો ટકા રિકવર થયો છે. અદાણી પોર્ટ્સના શેરમાં ત્રણ ફેબ્રુઆરીના રોજ ત્રણસો ચોરાણુ રૂપિયાની વર્ષની નીચી સપાટી બની હતી. ત્રેવીસ મે, બેહજાર ત્રેવીસના રોજ આ શેરમાં સાતસો છ્યાસી રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચ બનાવી સેશનના અંતે અડધા ટકાના સુધારામાં સાતસો તેત્રીસ રૂપિયાના ભાવે બંધ થયો હતો. મુખ્તાર અબ્બાસ નકવીના રાજકીય કરિયર અને તેમની લવ લાઈફ વિશે અવાર નવાર મીડિયામાં વાત થાય છે. આર્ટસ અને માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યા બાદ નકવી નેતા બનવાની વાર્તા રસપ્રદ છે. મુખ્તાર અબ્બાસ નકવીએ કાર્યક્રમ 'બેબાક'માં પોતાના નેતા બનવાની પુરી કહાની કહી. કાર્યક્રમમાં એડિટર વિજય કુમાર ઝા સાથેની વાતચીતમાં નકવીએ અંગત અને રાજકીય સફર સાથે જોડાયેલી ઘણી યાદો શેર કરી.